હીરાના વેપારનો મારો વાર્ષિક ટર્નઓવર રૂપિયા પચ્ચીસ કરોડની આસપાસ છે. તેઓ કહે છે, હાલમાં સુરતમાં લગભગ પાંચ હજાર નાના અને મોટા હીરાના એકમો છે, જે છ લાખથી વધુ હીરા કામદારોને રોજગારી આપે છે. વ્યવસાય નિકાસલક્ષી અને નફો કમાવાનો છે. રિયલ એસ્ટેટ અને ટેક્સટાઇલ સેક્ટર અને અન્ય સેક્ટરમાં પણ નાણાંનું રોકાણ કરવામાં આવે છે. મારા મતે સુરત શહેરની કુલ અર્થવ્યવસ્થામાં હીરા ઉદ્યોગનો ફાળો પાંત્રીસ ટકાથી વધુ છે. અસંગઠિત ક્ષેત્ર હેઠળ આવતા હોવા છતાં, ફેક્ટરીઓ અને તેની સાથે સંકળાયેલા લોકોની સંખ્યા વિશે કોઈ વાસ્તવિક ડેટા નથી. પરિણામ વેકરિયાના જણાવ્યા મુજબ, કોવિડ મહામારી દરમિયાન, હીરા ઉદ્યોગને ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને કારખાનાઓ બંધ થઈ ગયા હતા. પરિણામે, લાખો લોકો આ ઉદ્યોગમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી તેમના વતન સ્થળાંતર થયા. કોવિડ પછી, હીરાનો ધંધો ખીલ્યો અને લોકોએ વધુ કમાણી કરી. જો કે, રુસિયા-યુક્રેન યુદ્ધ પછી, હીરાના કારખાનાઓને રફ હીરાના પુરવઠામાં અછતનો સામનો કરવો પડ્યો. જ્યારે યુદ્ધ શરૂ થયું, ત્યારે રશિયામાંથી આયાત કરાયેલા રફ હીરાનો હિસ્સો લગભગ પચ્ચીસ-ત્રીસ ટકા હતો. છેલ્લા બે મહિનામાં તે ઘટીને પાંચ-સાત ટકા પર આવી ગયો છે. "આનું કારણ એ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ્ડ હીરાની બહુ ઓછી માંગ રહી છે. બીજો પડકાર મહામારી સાથે સંબંધિત છે. "અમેરિકામાં લોકો કામ વિના ઘરે જ રહ્યા અને સરકાર તરફથી ભથ્થાં મેળવ્યા. ઓછા ખર્ચ સાથે, તેમણે ઘણા પૈસા બચાવ્યા અને દાગીના ખરીદવામાં રોક્યા. જોકે, હવે અમેરિકન માર્કેટ અને અન્ય યુરોપીયન દેશોમાં કોઈ મોટી વેચવાલી નથી, જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી છે. જો આ આગામી કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહેશે, તો ઉદ્યોગને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડશે, જે બે હજાર આઠની મંદીમાં જોવા મળ્યું હતું. હનિફ મલિક વેકેરિયા દાવો કરે છે કે, માલિકો મુક્તપણે ઉત્પાદનને નિયંત્રિત કરવા રજાઓ જાહેર કરે છે અને કોઈપણ છટણી થઈ હોવાનો ઇનકાર કરે છે. ટાંક કહે છે કે, યુદ્ધને કારણે સર્જાયેલી મંદીને કારણે, વીસ હજાર થી વધુ હીરા કામદારો બેરોજગાર બન્યા, તેમણે ઉમેર્યું કે, ઘણા તેમના વતન સ્થળાંતર થયા અને અન્ય લોકોએ સામાન્ય નોકરીઓ શરૂ કરી. સુરતમાં ત્રણ સો થી વધુ નાના એકમો છે, જે ઉનાળામાં અનૌપચારિક રજાઓ જાહેર કરે છે જે અસામાન્ય છે. આ હીરા કામદારો અસ્તિત્વ માટે લડી રહ્યા છે. અમે સુરત જિલ્લા કલેક્ટરને એક મેમોરેન્ડમ આપીને માંગ કરી છે કે, રાજ્ય સરકાર હીરા કામદારો માટે નાણાકીય પેકેજ અને તેમને મદદ કરવાની યોજના જાહેર કરે. યુદ્ધને કારણે પોલિશ્ડ હીરાની નિકાસમાં પણ ઘટાડો થયો હતો.